બોલ્ડ અને કલરફુલ લુક માટે તમે બ્રાઈટ કુશન અથવા થ્રોનો ઉપયોગ કરી શકો છો અથવા વધુ અલ્પોક્તિભર્યા વાઈબ માટે ન્યૂટ્રલ ટોન અને ન્યૂનતમ એસેસરીઝ સાથે તેને સરળ રાખી શકો છો. તેથી, તમે ભલે ક્લાસિક દેખાવને પસંદ કરો કે વધુ સમકાલીન અનુભવ, દીવાન પલંગ તમારા ઘરની સજાવટને સંપૂર્ણ રીતે પૂરક બનાવશે. અત્યાધુનિક દિવાન બેડ ડિઝાઇન જીત માટે અદ્યતન દિવાન બેડ ડિઝાઇન આઇડિયા! લિવિંગ એરિયામાં દીવાન પથારીથી ડિઝાઈનની જરૂર છે, પરંતુ ડર એ છે કે તે તમારા સમકાલીન ઘરના સૌંદર્ય શાસ્ત્ર સાથે મેળખાશે? સારું, અમારી પાસે એક ઉકે ઉપર શેર કરેલી છબીની જેમ સમકાલીન અપીલ સાથે દીવાન બેડ ડિઝાઇન માટ વિચારો માટે જુઓ. બેઠકમાં પેનલ કરેલ એનક્સ્ટેંશન છે જેનો ઉપયોગ સજાવટની વસ્તુઓ મૂકવા માટે કરી શકાય છે જે તેને એક અનન્ય ડિઝાઇન બનાવે છે જેની પ્રશંસા કરવાનું બંધ કરી શકાતું નથી. જ્યારે ડિઝાઇન ઓછામાં ઓછી પરંપરાગત નથી, ફર્નિચરનોભાગ તમારી વસવાટ કરો છો જગ્યામાં દીવાનના હેતુને પૂર્ણ કરે છે અને એકસમયે છટાદાર આને આકર્ષક દેખાવાનું સંચાલન કરે છે! સમકાલીન આધુનિક શૈલી દીવાન પલંગ ઉત્કૃષ્ટ પૃષ્ઠભૂમિ અરીસાઓ સાથે સમકાલીન આધુનિક-શૈલીનો દીવાન પલંગ. આધુનિક-શૈલીના દીવાન પથારીની ડિઝાઇનમાં સ્વચ્છ રેખાનાઓ અને સરળ, ઓછામાં ઓછી ડિઝાઇન છે. તે તેમના માટે યોગ્ય છે જેઓ તેમના બેડરૂમમાં વધુ સુવ્યવસ્થિત દેખાવ પસંદ કરે છે. સમકાલીન દીવાન પથારીમાં એક લોકપ્રિય વલણ બેજ, રાખોડી અને સફેદ જેવા તટસ્થ રંગોનો ઉપયોગ છે. રંગો શાંત અને શાંત વાતાવરણ બનાવે છે, જે તમારા લિવિંગ રૂમ માટે યોગ્ય છે. સમકાલીન દીવાન પલંગ પણ આજકાલ જ્યુટ, વાંસ અને રતન જેવા કુદરતી સામગ્રીથી બનાવવામાં આવે છે. સામગ્રીઓ દીવાન પથારીને ગામઠી, બોહેમિયન અનુભવ આપે છે, જે ધરતી, શાંત સૌંદર્યને પસંદ કરતા લોકો માટે યોગ્ય તેથી, તેનો ઉપયોગ બીચ હાઉસ, કેબિન્સ અને આધુનિક એપાર્ટમેન્ટ્સમાં પણ થઈ શકે છે. એશલી ફર્નિચરતમારે જે જાણવાની જરૂર છે તે બધું, બહાર માટે ઘડાયેલા લોખંડના ફર્નિચરમાં વિચારો, અખબારની થેલીઓતમારા અખબારને બેગમાં ચતુરાઈથી રિસાયકલ કરવાની રીતો, બેડરૂમ માટે નવીનતમ બે ડબલ બેડ ડિઝાઇનફોટા સાથે, સંગ્રહ દીવાન બેડ બેડરૂમ માટે નીચે બિલ્ટ-ઇન કમ્પાર્ટમેન્ટ સાથેનો સ્ટોરેજ દીવાન બેડ. ફર્નિચરનોબહુમુખી ભાગ તે લોકો માટે યોગ્ય છે જેમની પાસે જગ્યા ઓછી છે પરંતુ તેમ છતાં તેઓ બે તેમના બેડરૂમને વ્યવસ્થિત અને વ્યવસ્થિત રાખવા માંગે છે. તમે વધારાના લિનન અને ધાબળાથી લઈને કપડાં, પગરખાં અને એસેસરીઝ સુધી કંઈપણ સ્ટોર કરી શકો છો. વધુ અવ્યસ્થિત કબાટ અથવા વહેતા ડ્રેસર્સ નહીં! ભલે તમે જગ્યા બચાવવા માંગતા હોવ અથવા તમારા બેડ્સરૂમમાં લાવણ્યનો સ્પર્શ ઉમેરવા માંગતા હો, સ્ટોરેજ દીવાન બેડયોગ્ય પસંદગી છે. તેની